જેમ આપણે નીચે ચાલ્યા ગયા હોલીવૂડની શેરીઓ, સ્ક્રીનવીટર્સના પડોશમાં, અભિનેતાઓ અને ફિલ્મ નિર્માતાઓ, ત્રણેયએ અદ્રશ્યતા ધારણ કરી કે દરેક વશિષ્ઠ કરે છે. હું મારી જાતને પૂછીશ, "તે કેવી રીતે બીજું કોઈ નથી આ ત્રણ માણસો જુએ છે? હું કેમ છું તે શા માટે છે ફક્ત એક જ જે તેમને જુએ છે? " વર્ષો પછી, જેમ મેં શેર કરવાનું શરૂ કર્યું લોકો સાથે આ કામ, મેં નોંધ્યું કે લોકો મોટે ભાગે છે આ વાર્તા સાથે અસ્વસ્થતા. કદાચ તે ત્રણેય કારણ છે પરંપરાગત માન્યતાઓ ધારે છે પ્રેમ સાથે સંકળાયેલ, રોમાંસ અથવા ભાગીદારી. તેઓ જાહેરમાં અદ્રશ્ય હતા અને તેમના સાથીદારો દ્વારા. તેઓ ક્યાંક સંબંધ રાખવા માંગે છે પરંતુ ફક્ત એકબીજા સાથે સંબંધ હોવાનું લાગતું હતું. હું પણ ક્યાંક સંબંધ રાખવા માંગતો હતો. અને મારો કૅમેરો ઉત્પ્રેરક રહ્યો છે મારા માટે દરેક જગ્યાએ છે. પરંતુ પડકારજનક સમાજ-સાંસ્કૃતિકથી આગળ વડીલો વિશેના ધોરણો, ત્રણેય પ્રકાશ પાડે છે દૂરસ્થતા ના ભય પર. દરેક દિવસ ઓવરને અંતે, તેઓ પાછા તેમના સંબંધિત નિવૃત્તિ ધર ઘરોમાં. તેમના એકલતા ની સપાટી હેઠળ, સમુદાય માટે ઇચ્છા છે, તેમના લોકો માટે. ત્યાં એક અર્થ હતો કે તેઓ દરેક હતા તેમના આદિજાતિ માટે ઉત્સુક, પરંતુ તે આરામ સમાધાન સાથે આવે છે,। કારણ કે એક મહિલાને મોકલવું નહીં. એક દિવસ જીની સાથે બેઠક તેણીના ઍપાર્ટમેન્ટમાં, તેણીએ મને કહ્યું, "શેરિંગ વીલ તમારી બાજુમાં કાંટો છે. માણસ વચ્ચેનો સંબંધ અને સ્ત્રી ખાનગી છે. તે એક દંપતિ છે, ત્રણેય નથી. " મારી પ્રક્રિયા આવશ્યક છે હું દસ્તાવેજ કરું છું તે લોકો બનો તેમની સાથે વર્ષો પસાર કરીને નિરીક્ષક-વ્યવસાયી તરીકે, સુરક્ષિત જગ્યા બનાવવા માટે, પછી સાદા દૃષ્ટિ માં છુપાયેલા બની જાય છે. જ્યારે હું ત્રણેયને મળ્યો ત્યારે હું લગભગ સત્તર વર્ષનો હતો, અને હું તેમને ચાર વર્ષ માટે છાયા. અમે ખરેખર, ભંગાણ માં જુઓ સામાજિક વિકાસ, તે કિશોરાવસ્થા અને વૃદ્ધાવસ્થા એકદમ એકસરખું જુઓ, કારણ કે બંને સમય છે ઓળખ મૂંઝવણ. હું સ્ત્રીઓ સાથે ઓળખાય છે. પણ વિલ સાથે, જેણે મને બનાવ્યું મને વિભાજીત કરો. આ વિવાદ જે આપણે દરેકને વારંવાર આપીએ છીએ આપણે જે જોઈએ તે વિશે અને અમારી પરિસ્થિતિની વાસ્તવિકતા. આ શ્રેણીની શૂટિંગ પહેલાં, હું બે જુદા જુદા પ્રેમમાં હતો લોકો જે એકબીજા વિશે જાણતા હતા, તે વસ્તુ જેના પર તેઓ લડ્યા. પણ હું પણ જાણતો હતો કે તે જેવો હતો ત્રિકોણના આધાર પર હોવું, જીની અથવા એડિના જેવા, પોતાને પૂછો, "હું કેમ પૂરતો નથી? " હું મારા વ્યુફાઈન્ડરને જોઉં છું અને ત્રણ વૃદ્ધોને